તેણે તેણીને ટોપલીમાં રાખી અને પાછું વળીને જોયા વિના તે સ્થળ છોડી દીધું. વાસુદેવને લાગ્યું કે તે પોતાના આત્માનો એક ભાગ છોડીને જઈ રહ્યો છે. ઉતાવળમાં, તેણે તેના પગલાઓ જેલ તરફ પાછા ખેંચ્યા. પાછા ફરતી વખતે, આદિ-શેષાએ ફરીથી તેને અને નાના શિશુને સતત વરસાદ અને ગર્જનાથી ઢાંકી દીધા. જેલની કોટડીમાં તેણે તેની પત્ની દેવકી સિવાય બાળકને મૂકતાં જ શિશુએ જોરથી રડવાનું શરૂ કર્યું. દેવકી તેની ઊંઘમાંથી ઉઠી અને તેણે બાળકને પોતાના હાથમાં લીધું. તેણે વિચાર્યું કે નાની છોકરી તેનું પોતાનું બાળક છે. તેનો ભાઈ બાળકનું શું કરશે તે વિચારીને તે રડવા લાગી. જેલના રક્ષકો પણ અત્યાર સુધીમાં જાગી ગયા હતા. તેઓએ તરત જ કમસાને નવજાત વિશે જાણ કરી. તેઓએ એ પણ માહિતી આપી કે નવજાત એક છોકરી હતી અને ભવિષ્યવાણી કરવામાં આવી હતી તે રીતે છોકરો નથી. કમસા અંધાર કોટડીમાં ઉતાવળ કરી. તે કોઈ ચાન્સ લેવા માંગતો ન હતો. ભવિષ્યવાણીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દેવકીનું આઠમું જન્મેલું બાળક તેના મૃત્યુનું કારણ હશે. તે બાળકને નાબૂદ કરશે, પછી ભલે તે છોકરી હોય કે છોકરો. જેલની કોટડીમાં પહોંચીને દેવકીએ વિનંતી કરી, ઓ ભાઈ! આ નાના બાળક પર દયા કરો. તે છોકરી છે અને છોકરો નથી. તમારે ડરવાનું કંઈ નથી. ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ છે. તેણીનો જીવ બચાવો. હું ભીખ માંગું છુ. કંસા અચલ હતી. તેણે દેવકીના હાથમાંથી બાળક છીનવી લીધું અને તેને દિવાલ સાથે ફેંકી દીધું. પરંતુ બાળક દિવાલ સાથે અથડાયું નહીં. તેના બદલે, તે હવામાં લટકતી રહી અને પછી અચાનક આઠ હાથવાળી દેવીનું રૂપ ધારણ કરી. આઠ હાથવાળી દેવી દુર્ગા સિવાય અન્ય કોઈ ન હતી. તે સિંહ પર સવારી કરી રહી હતી અને તેના આઠ હાથમાં અલગ-અલગ શસ્ત્રો પકડ્યા હતા. કમસા ગભરાઈ ગઈ. બીજી તરફ, દેવકી અને વાસુદેવ આદર અને પ્રણામથી ભરપૂર, દેવીની સામે ઉભા હતા. તેની પાછળ એક તેજસ્વી પ્રભામંડળ હતો. તે રાત્રે, જેલની કોટડી ફરી એકવાર તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગઈ. દુર્ગાએ ગર્જના કરી, દુષ્ટ કંસા, તારો હત્યારો જન્મ લઈ ચૂક્યો છે. તે જીવંત અને સલામત છે. એક દિવસ, તે પાછો આવશે અને તમને તમારા પાપો માટે સજા કરશે. આ દિવસે, તમને શાંતિ મળશે નહીં. તમે તમારા અનિવાર્ય અંત વિશે વિચારતા રહેશો. હું આ જ ક્ષણે તમારું જીવન સમાપ્ત કરી શકું છું પરંતુ તમારે યોગ્ય સમય સુધી રાહ જોવી પડશે. આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગયા. કંસા મૂંઝાઈ ગઈ. તેણે મનમાં વિચાર્યું, કદાચ મારો હત્યારો ડરી ગયો અને તેણે મારી જેલમાં જન્મ